એક સો છ નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોળ મો પદવીદાન સમારોહ યોજાયો બાઇટ રમેશ રાઠોડ સુરતમાં ચૂંટણી બેઠક સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે ઓક્ઝર્વર રાકેશ શંકરે આજે તમામ રીટર્નિંગ ઓફિસર અને નોડલ ઓફિસર સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી અને આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સૂચના આપી હતી જામનગર મહાનગરપાલિકા ના સોળ વોર્ડ ની ચોસઠ બેઠક માટે આજે બાર ફોર્મ પાછા ખેંચાયા બાદ હવે બસ્સો છત્રીસ ઉમેદવાર મેદાન માં રહ્યા છે ઉપરાંત રાજ્યકક્ષાએ પિસ્તાલીસ હજાર ડોઝનો જથ્થો અનામત રખાયો છે એક સો ત્રણ ભાવનગર મહાનગરપાલિકાના તેર વોર્ડ ની બાવન બેઠક ઉપર બસ્સો અગિયાર ઉમેદવાર ચૂંટણી લડશે જે પૈકી ભાજપ તમામ બેઠક ઉપર તો કોંગ્રેસ એકાવન બેઠક ઉપર ચૂંટણી લડશે જે અંતર્ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલ જામનગર ખાતે તથા બાર ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા હોલ દેવભૂમિ દ્વારકા ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે ગઇકાલે નારણપુરા બેઠક પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું એકતા મોલ તરીકે એવા બજારનું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની હસ્તકળા ની વસ્તુ ખરીદી શકે ભારતીય હવાઈ દળના જવાનોએ ફ્લાય પાસ્ટ યોજી હતી રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી પેટાચૂંટણીમાં જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે સંરક્ષણ ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બની રહ્યો છે વીસ બે શ્રી મોદીએ આતંકવાદ સામેની લડતમાં સાથે મળીને કામગીરી કરવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શાંતિ તથા સમૃદ્ધિ સાથેના ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે પ્રધાનમંત્રીએ ગયા વર્ષે પુલવામાં હુમલાની ઘટનામાં વિપક્ષે અપનાવેલા વલણની ટિકા કરી હતી તથા આ હુમલામાં ચાલીસ જેટલા અર્ધલશ્કરી દળના જવાનો શહિદ થયા હતા ત્યારે આ દુખમાં સહભાગી નહી થવાનો આક્ષેપ વિપક્ષ સામે કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે કેવડીયા ખાતે દેશની પ્રથમ સીપ્લેન સેવાનું ઉદ્દઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી શ્રી મોદી ચિલ્ડ્રન ન્યૂટ્રીશન માં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોય ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ પણ કર્યો હતો પેટાચૂંટણી રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની મંગળવારે યોજાનારી પેટાચૂંટણીમાં જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે કેવડીયા ખાતે સ્ટેગ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતામોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા ભારતે સરહદ અંગેની નીતિમાં પરિવર્તન લાવ્યું છે અને સરહદે અસ્વીકાર્ય વલણ અપનાવનાર પાડોશી દેશોને યોગ્ય રીતે વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે ઉલ્લેખનીય છે કે રાજ્ય વિધાનસભાની અબડાસા મોરબી ગઢડા સહિત આઠ બેઠકોની પેટાચૂંટણી મંગળવારે યોજાઇ રહી છે જેમાં આરોગ્ય વન એકતા મોલ જંગલ સફારી ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક અને જળ સહેલગાહ કરાવતી ક્રૂઝ સેવા મુખ્ય છે પણ અમારી સરકારે સૌની યૌજના થકી આ તમામ ખાલી ડેમો ભરી ખેડૂતોની મદદ કરી છે।